ગાંધીબાપુને બાળકો બહુ જ વહાલાં હતા. ગાંધીબાપુ દલિતોના ઉદ્ધાર માટે પણ ઘણા જ પ્રયત્નશીલ હતા. એમણે લક્ષ્મી નામની એક દલિત બાળાને પોતાની દીકરી તરીકે દત્તક લઇને સમાજને એક ઉમદા ઉદાહરણ આપ્યું હતું. લક્ષ્મી બાપુ સાથે આશ્રમમાં જ રહેતી, અને બાપુએ તેનો એમની સગી દીકરીની જેમ જ ઉછેર કર્યો હતો. બાપુ આશ્રમના બાળકોને એમની સાથે સાંજે ચાલવા લઇ જતા. તેઓ બાળકોને આશ્રમની પાછળ સાબરમતી નદીના કિનારે લઇ જતા. તેઓ બાળકોને નદીમાં તરવા માટે પ્રોત્સાહિત કરતા. તેઓ બાળકો માટે તરણ સ્પર્ધા પણ યોજતા. કોઈ વાર તો તેઓ સ્વયં બાળકો સાથે તરણ સ્પર્ધા કરતા. બાપુ ઘણી વાર બાળકોને ભોજન પણ પીરસતા. તેઓ બાળકો માટે એકપાત્રીય અભિનય પણ કરાવતા. તેઓ બાળકો પાસે રામાયણ અને મહાભારતનો અભિનય કરાવતા. ગાંધીજીના અંગત મદદનીશ મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ એમની ગાંધી કથા માટે પ્રખ્યાત થયા છે. એમણે ગાંધીજીનો સંદેશ "ગાંધીકથા" મારફતે લોકો સુધી પહોંચાડયો. તેઓ બાપુ સાથે પચ્ચીસ વર્ષ રહ્યા હતા. પ્રાર્થના વખતે તેઓ બાપુના ખોળામાં બેસતા. ઘણી વાર બીજા કેટલાક બાળકો પણ પ્રાર્થના વખતે બાપુના ખોળામાં બેસી જતા. એક વખત બાળકોએ પ્રાર્થના દરમ્યાન ગેરવર્તણુંક કરી. તેમણે આશ્રમના કેટલાક લોકોની નકલ કરી. આ લોકોએ બાપુને ફરિયાદ કરી, પરંતુ બાપુ બિલકુલ ગુસ્સે ન થયા. એમણે કહ્યું કે બાળકો પ્રાર્થના દરમ્યાન ચૂપચાપ બેસી રહે તે શક્ય જ નથી. બાપુ શિસ્તના ચુસ્ત આગ્રહી હોવા છતાં કોઈ વાર બાળકો સવારની પ્રાર્થનામાં હાજર ન રહી શકે તો પણ ગુસ્સે ન થતા. બાપુ અહિંસાના પણ ચુસ્ત આગ્રહી હતા, છતાં તેઓ આ બાબતે વ્યાવહારિક વલણ અપનાવતા. એક વાર કેટલીક યુવાન છોકરીઓએ એમને પૂછ્યું કે ખરાબ માણસો તેમને હેરાન કરતા હોય તો શું કરવું? ગાંધીબાપુએ તેમને કહ્યું કે તેઓએ નીડર બનવું જોઈએ અને આવા માણસોને શરણે જવાને બદલે તેમનો સામનો કરવો જોઈએ. તેમના સ્વરક્ષણ માટે તેઓ ચપ્પુ પણ રાખી શકે! ભગતસિંહનું બાળપણ: એક સાંજે પંજાબના એક ગામમાં ત્રણ વર્ષના બાળક ભગતસિંહ તેમના પિતા સાથે ફરવા નીકળ્યા. તેમના પિતાની સાથે તેમના મિત્ર પણ હતા. તેઓ ખેતર પાસેથી વાતો કરતા-કરતા ચાલતા હતા. અચાનક ભગતસિંહના પગરવ સંભળાતા બંધ થયા એટલે તેમના પિતાએ પાછળ વળીને જોયું, તો બાળક નીચે બેસીને કશુંક વાવવાનો પ્રયત્ન કરતો હતો. તેમના પિતાએ આશ્ચર્ય સાથે ભગતસિંહને પૂછ્યું, "બેટા, તું શું વાવી રહ્યો છે?" બાળકે નિર્દોષતાથી જવાબ આપ્યો, "બાપુજી, હું આખા ખેતરમાં બંદૂક વાવવા માંગુ છું." તેની આંખોમાં ચમક હતી કે તે ખેતરમાં બંદૂકો વાવી શકશે. બાળપણથી જ ભગતસિંહને દેશ માટે કાઇંક કરી છૂટવાની ધગશ હતી. શાળામાં ભણતા હતા